મીડિયા અહેવાલો અનુસાર, બ્રિટિશ સરકાર ઓરોફર્ડ કોરોના રસીને ઝડપથી મંજૂરી આપવા માટે કાયદામાં ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે, જેમાં કોરોના ચેપની વધતી સંખ્યા અને મૃત્યુઆંકને ધ્યાનમાં લેવામાં આવે છે. હાલમાં, આ રસીની સુનાવણી અંતિમ તબક્કામાં છે. હકીકતમાં, બ્રિટિશ સરકાર ઇચ્છે છે કે આ રસી રસી થતાંની સાથે જ ચેપગ્રસ્ત દર્દીઓની સારવાર માટે રસી તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ થાય, કેમ કે રસી સફળ જાહેર થયા પછી તેને સામાન્ય રીતે લગભગ એક મહિનાનો સમય લાગે છે.. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિનની પુત્રી સહિત ઘણાને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. તાજેતરમાં જ તેણે ચેનલ રોસિયા ને આપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે તેની પુત્રી રસી અપાવ્યા બાદ સુરક્ષિત અને સ્વસ્થ લાગે છે. ચીનમાં, રસી જુલાઈથી જ ટ્રાયલ પૂર્ણ કર્યા વિના આપવામાં આવી રહી છે. ચીનમાં પણ અનેક કોરોના રસીઓ ચાલુ છે, પરંતુ તાજેતરના અહેવાલમાં બધાને આશ્ચર્યચકિત કર્યા છે. અહીંના રાષ્ટ્રીય આરોગ્ય આયોગે શનિવારે ખુલાસો કર્યો છે કે તે જુલાઈથી તેના લોકોને રસી ડોઝ આપી રહ્યો છે અને તેની આડઅસર હજુ સુધી જોવા મળી નથી. જોકે, કમિશને જણાવ્યું ન હતું કે લોકોને કઈ રસી આપવામાં આવી રહી છે. નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન.